હું મારા બીજા વર્ષના શિક્ષણ પાછળ વિ વિચરુંછું. મારી પાસે એક વિદ્યાર્થી હતો જેને હું ડેવિડ કહીશ, અને મને એવું લાગે છે કે મેં ખૂબ સારું કામ કર્યું હોત. તે વર્ષ શિક્ષણ પર અરે, હું પહેલો વર્ષનો શિક્ષક નથી. હું જાણું છું કે હું શું કરી રહ્યો છું અને તે શાળાના છેલ્લા દિવસે હતો, મેં ડેવિડને કહ્યું કે ઉનાળો આવે. અને મેં તેને હોલની નીચે ચાલતા જોયા અને મેં મારી જાતને વિચાર્યું. મને ખબર પણ નથી તેનો અવાજ કેવો લાગે છે અને હું જ્યારે સમજાયું ત્યારે જ હું તે બરાબર નથી કરી રહ્યો. તેથી મેં લગભગ બધું બદલી નાખ્યું. મારા શિક્ષણ વિશે મેં પુષ્કળ તકો બનાવી છે. મારા વિદ્યાર્થીઓ મારી સાથે વાત કરે છે અને એકબીજા સાથે વાત કરવા, તેમના લખાણ શેર કરવા માટે અને તેમના શિક્ષણને શાબ્દિક બનાવવું અને તે વાર્તાલાપો દ્વારા હતો મેં ફક્ત તેમનો અવાજ જાણવાનું શરૂ કર્યું નહીં, પરંતુ તેમની પીડા જાણવા માટે. મારે ડેવિડને આવતા વર્ષે ફરીથી ક્લાસમાં પ્રવેશ કર્યો અને મને ખબર પડી કે તેના પિતા બિનદસ્તાવેજીકૃત હતું અને દેશનિકાલ કરવામાં આવી હતી. તેણે શાળામાં અભિનય શરૂ કર્યો કારણ કે તે ઇચ્છતો હતો તેમના પરિવાર સાથે ફરી એક સાથે રહેવા માટે હતી. ઘણી બધી રીતે, મને તેની પીડા અનુભવાઈ અને મારે સાંભળવાની કોઈની જરૂર નથી, કોઈએ મારા માટે આધાર પૂરો પાડવા માટે જેથી હું આ વસ્તુમાં તેનો ટેકો આપી શકું કે હું સમજી પણ ન શક્યો અને અમે તે જરૂરિયાતને ઓળખીએ છીએ. પોલીસ અધિકારીઓ કે જેમણે સાક્ષી આપી છે એક ભયાનક ગુનો દ્રશ્ય અને નર્સો કે જેમણે દર્દી ગુમાવ્યો છે. પરંતુ જ્યારે તે આવે છે શિક્ષણ વ્યવસાયિકો માટે, તે તાકીદ પાછળ છે. હું માનું છું કે તે સર્વોપરી છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો, એડમિનિસ્ટ્રેટ્સ, અ પેરાપ્રોફેશનલ્સ અને અન્ય તમામ સપોર્ટ સ્ટાફ અનુકૂળ અને સસ્તું વપરાશ છે. માનસિક સુખાકારી આધાર રાખે છે. જ્યારે આપણે સતત અન્યની સેવા કરીએ છીએ, ઘણીવાર પચ્ચીસની વચ્ચે અને દરરોજ એકસો પચ્ચીસ વિદ્યાર્થીઓ, અમારી ભાવનાત્મક પિગી બેંકો સતત દોરવામાં આવે છે. થોડા સમય પછી, તે આટલું ઓછું થઈ શકે છે, કે આપણે હવે તે સહન કરી શકતા નથી. તેઓ તેને ગૌણ આઘાત કહે છે અને કરુણા થાક,ખ્યાલ કે અમે આઘાતને શોષીએ છીએ. અમારા વિદ્યાર્થીઓ દરરોજ અમારી સાથે શેર કરે છે અને થોડા સમય પછી, આપણા આત્માઓ વજનમાં પડી જાય છે.